ચોમાસાની ઋતુ દરમિયાન ગયા અઠવાડીએ ઉત્તર ભારતમાં થયેલા ભારે વરસાદ જેવી ઘટનાઓ ભારતમાં ગમે ત્યાં થઈ શકે છે. પૂરની ઘટનાઓ ઘટાડવા માટે, આપણે બહુ-આયામી અભિગમની જરૂર છે, જેમાં સક્રિય ઉપાય અને પ્રતિક્રિયાત્મક રણનીતિ બંનેનો સમાવેશ થાય છે. તેમાં નીચેનાનો સમાવેશ થઈ શકે છે: પ્રથમ, એક મજબૂત પ્રારંભિક ચેતવણી પ્રણાલી, જે લોકોને ભારે વરસાદ અને સંભવિત પૂર અંગે પહેલાથી સચોટ ચેતવણી આપી શકે છે. આ સિસ્ટમમાં ડોપ્લર વેધર રડાર અને ઉચ્ચ રિઝોલ્યુશન ન્યુમેરિકલ વેધર પ્રિડિક્શન મોડલ સહિત હવામાનશાસ્ત્રીય અવલોકનોનો સમાવેશ થઈ શકે છે. ચોથું, પાણીનો ભરાવો અટકાવવા માટે ડ્રેનેજ સિસ્ટમ્સ અને ચેનલો જેવી આબોહવા-સ્થિતિસ્થાપક માળખામાં સુધારો અને જાળવણી કરવી. પાંચમું, જમીન ઉપયોગ આયોજન અને ઝોનિંગ નિયમોનું યોગ્ય અમલીકરણ. ઉદાહરણ તરીકે, અચાનક પૂરની સંભાવના ધરાવતા વિસ્તારોને બિન-રહેણાંક અથવા પ્રતિબંધિત વિસ્તારો તરીકે નિયુક્ત કરી શકાય છે. છઠ્ઠું, જંગલો અને વેટલેન્ડ્સ જેવી કુદરતી ઇકોસિસ્ટમનું રક્ષણ અને પુનઃસંગ્રહ. વનસ્પતિ કુદરતી બફર તરીકે કામ કરે છે, વરસાદને શોષી લે છે અને વહેણ ઘટાડે છે. સાત, જાગરૂકતા ઝુંબેશ લોકોને પૂર દરમિયાન યોગ્ય પગલાં લેવા માટે પ્રભાવિત કરી શકે છે, જેમાં ખાલી કરાવવાની વ્યવસ્થા કરવી, પ્રાથમિક સારવાર પૂરી પાડવી અને વિશ્વસનીય સ્ત્રોતોમાંથી માહિતી મેળવવાનો સમાવેશ થાય છે.